જૂના વખતની વાત છે પણ તે એક સનાતન સત્ય જેવી વાત છે. ઉંદરનું બચ્ચું – આજે એટલી બધી ભૂખ લાગી છે, કે કહેવાની વાત જ નહિ; પણ આજ રાતે બહાર નીકળી શકાય એમ નથી, કારણ કે ઘરધણીએ એક નવી બિલાડી પાળી છે. મોટો ઉંદર – ખરું; વળી તેના પગ નીચે મખમલ જેવી સુંવાળી ગાદીઓ છે, તેથી આપણા તરફ આવે તો પણ આપણને બિલકુલ ખબર પડે નહિ. જુઓને, મારું હૈયું તો તેના વિચારથી જ અત્યારથી ધબક ધબક થાય છે! એક ઘરડો ઉંદર – અરે! તમે બધા બહુ જ બીકણ લાગો છો. તમારી અક્કલનો તો જરા ઉપયોગ કરો. બાંધોને તેની ડોકે એક ઘંટડી, કે જ્યારે આપણા તરફ આવે, ત્યારે તે ઘંટડીનો રણકો આપણે બધા સાંભળી શકીએ, અને સુખેથી નાસી જઈએ! બીજા ઉંદરો – ખરું, ખરું, તેમ જ તેમ જ; શાબાશ! શાબાશ! ફક્ત એક ઘંટડીની જ જરૂર છે. ઘરડો ઉંદર – ભાઈઓ, તમે મારા કહેવાની ખૂબી સમજો છો તેથી મને ઘણો જ આનંદ થાય છે. હું હમણાં જ એક ઘંટડી લાવું છું. ઘરડો ઉંદર – જુઓ, ભાઈઓ, આ ઘંટડીનો રણકો કેવો તીણો છે! ઘરના ગમે તે ભાગમાં તેનો અવાજ સંભળાય છે. બધા ઉંદરો – હો! હો! હો! ઘંટડી તો મજાની છે. વાહ! વળી તેનો રણકો કેવો સરસ સંભળાય છે! જો આ ઘંટડી ગમે તે રીતે બિલાડીની ડોકે બાંધવામાં આવે તો મગદૂર નથી કે તે એક ઉંદરને પકડી શકે! ઘરડો ઉંદર – એમ જ, એમ જ; પણ હવે આ ઘંટડી બિલાડીની ડોકે બાંધવા માટે કોણ જાય છે? નાનો ઉંદર – ભાઈ સાહેબ, મારા હાથ એટલા બધા નાના છે, કે મારાથી આ કામ થઈ શકશે નહિ. ઘરડો ઉંદર – આ કામ કરવા કોઈ ખુશ હોય એમ જણાતું નથી. ત્યારે હવે હું મારી આંખ બંધ કરી ત્રણ ફેરા ફરું છું, અને ત્રીજે ફેરે મારા હાથમાં જે ઝલાઈ જશે તેને આ ઘંટડી બાંધવા જવું પડશે. બધા ઉંદરો – હા, હા, ખરું ખરું, એમ જ કરો; એમ જ કરો. ઘરડો ઉંદર – શું! આ શું! ખરે! બધા જ ઉંદરો બીકણ લાગે છે! કંઈ ફિકર નહિ, હું જાતે જ આ ઘંટડી બિલાડીની ડોકે બાંધવા જઈશ; પણ અરે સામે પેલું કોણ આવે છે? બડાઈખોર ઘરડા ઉંદરને નાસતો જોઈને દરમાંથી ડોકીયાં કાઢી રહેલા બધા ઉંદરો ખડખડાટ હસી પડ્યા. સાતસો વર્ષ જૂની જાપાની ટેકનિક: વૃક્ષ કાપ્યા વિના લાકડાનું ઉત્પાદન – દાયસુગીની કળા તમારા બાળકો માટે ગુજરાતીમાં નૈતિક બાલ વાર્તાઓ, જીવન સુધારનારા ઉપયોગી ટિપ્સ અને પ્રેરણાદાયી વાતો લાવું છું! પર મારી ગુજરાતી, અને પરિવાર માટેની સરળ વાતો વાંચો, જે તમારા જીવનને વધુ સારું બનાવે. બાળ વાર્તાઓ ગુજરાતી, ઉપયોગી જ્ઞાન અને પ્રેરણા અહીં જ મળશે.